જો તમે હીનતા સુકુલથી પીડાતા હોવ અથવા તમારામાં આત્મસન્માન ઓછું હોય, તો તમારે હોલને રંગવા માટે જાંબલીનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. જ્યારે તમે તમારા ઘરને જાંબલી રંગ કરો છો ત્યારે તમે વધુ આત્મવિશ્વાસ મેળવી શકો છો. જાંબલી રંગનો સમકાલીન લિવિંગ રૂમ પેસ્ટલ્સ વાસ્તુશાસ્ત્ર મુજબ, બધા પેસ્ટલ રંગો હોલને રંગવા માટે ઉત્તમ છે. જો કે, તમારે ઘરની છત અને દિવાલ પર ખૂબહળવા રંગોનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરની આસપાસ રહેલી સકારાત્મક ઉર્જા એકઠી કરવામાં મદદ કરશે. હકારાત્મકતા માટે પેસ્ટલ રંગન નો હોલ તમારા હોલ માટે સુશોભન વા વાસ્તુ વસ્તુઓ હોર્સ પેઇન્ટિંગતમારા લિવિંગ રૂમની દક્ષિણ દિવાલ પર ઘોડાની પેઇન્ટિંગ મૂકો અને ઘરની સફળતા અને ખ્યાતિનું સ્વાગત કરો. જો દક્ષિણની દિવાલ શક્યહોય, તોપેઇન્ટિંગને તમારા હોલ વિસ્તારની ઉત્તરીય દિવાલ પર લગાવવાનું પસંદ કરોતે તમને સંપત્તિ અને કારકિર્દીમાં પ્રગતિ પ્રગતિ લાવશે. ઉરલીવાસ્તુશાસ્ત્ર અનુસાર, પાણી સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે. તેથી, જ્યારે તમે ફૂલો અને મીણબત્તીઓ સાથે તમારા ઘરના પ્રવેશદ્વાર પર પાણીનો બાઉલ અથવા ઉર્લી મૂકો છો ત્યારે તમે સમૃદ્ધ અને સંપત્તિનું સ્વાગત કરશો. ઘરના પ્રવેશદ્વાર પર પાણીનો બાઉલ રાખવાથી સમૃદ્ધિ આવશે. એક્સવેરિયમ વાસ્તુશાસ્ત્ર આપણને જણાવે છે કે ઘરમાં માછલીઘર હોવું ઘરમાં વિવિધ પ્રકારના વાસ્તુ દોષો માટે અસરકારક ઉપાય હોઈ શકે છે. માછલીઘર વહેતું પાણી સકારાત્મકતાનું પ્રતીક છે અને તમારા પરિસરમાં શાંતિ લાવવા માટે જાણીતું છે. તમારે તમારા હોલ અથવા લિવિંગ રૂમના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક મૂકવું જોઈએ. ઇન્ડોર છોડતમારા હોલમાં ઇન્ડોર છોડ રાખવાથી તમારી જગ્યાએની ઉર્જા તાજી રહેશે. વાસ્તુ સૂચવે છે કે તમારી પાસે તમારા ઘરના લિવિંગ રૂમમાં મની પ્લાન્ટ, સ્કેન પ્લાન્ટ, એલોવેરા અને વાંસના છોડ જેવા છોડ છે. ઘરના હોલ વિસ્તારમાં સાપના છોડની ભલામણ વાસ્તુશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. વોટરફોલ પેઇન્ટિંગ વોટરફોલ પેઇન્ટિંગ માટે લિવિંગ રૂમ અથવા હોલ એરિયા યોગ્ય જગ્યા છે. જગ્યામાં ઉત્તરની દીવાલ પર પેઇન્ટિંગ લગાડવો અને તમે ધનને આકર્ષિત કરશો કારણ કે ઉત્તર દિશામાં સંપત્તિના દેવતા કુબેરનું શાસન છે. વાસ્તુ હોલના રંગનો સારાંશ રંગ સ્થળ અને તેની શક્તિઓ પર ભારે અસર કરી શકે છે. વિવિધ શેડ્સના વાસ્તુ હોલના રંગો વિવિધ વસ્તુઓનો સંકેત આપી શકે છે અને તમે વાસ્તુ હોલના રંગોની મદદથી ઘરમાં ચોક્કસ ઊર્જાને પણ આમંત્રિત કરી શકો છો. ઉપર શેર કરેલા લેખોમાં, અમે તમને જણાવીએ છીએ કે વાસ્તુ હોલમા રંગો કેવી રીતે અલગ છે અને વિવિધ શેડ્સને આવરી લે છે. સફેદ જેવા તટસ્થ ટોનથી લઈને લાલ, વાદળી અને લીલા જેવા તેજસ્વી શેડ્સ સુધી, અમે અમને કહીએ છીએ કે તમારા હોલની દિવાલ પર રંગો શું સૂચવે છે. તો તમારા